તેઓ જોઈ શકે છે કે રસ્તામાં કાંટો હંમેશા મૂંઝવણ અથવા નથી એક ક્યારેક છતાં પણ આપણે તે સમયે જાણતા ન હોઈએ. કાંટો એ ઘરનો રસ્તો છે. ખુબ ખુબ આભાર! જ્યારે લોકો મને પ્રથમ વખત મારી નોકરી પર મળે છે, તેઓ વારંવાર પ્રેરણા અનુભવે છે. તેઓએ મારા વિશે એક સાક્ષાત્કાર કર્યો અને તે આ પ્રકારનું કંઈક છે, "અરે, હું જાણું છું કે તૂં પોલીસ વડા કેમ છે તેમના ઊંડા રહસ્યો તમારી સાથે શ્યામ કહેવા માંગે છે. ફિલ મનોવિજ્ઞાનમાં તમારી પીએચડી સાથે અને તમારું શાઇની ટાલ તમે મૂળભૂત છો બ્લેક ડો. ફિલ, ખરું?" અને દરેક વ્યક્તિ મારાં માટે જેણે મને ક્યારેય એવું કહ્યું છે હું આભાર કહેવા માંગતો નથી કારણ કે તે પ્રથમ વખત હતો મેં તે મજાક સંભાળ્યો. પરંતુ બીજા બધા માટે આશા છે તમે મારા પર વિશ્વાસ કરશો. હું તમને કહું કે પોલીસ મારી સાથે વાત કરવાનું પસંદ કરતું નથી. તેઓ વિચારે છે હું ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ છું અને હું એ પણ નથી. મને ખબર નથી તમારી માતાએ તમારી સાથે શું કર્યું. હું મદદ કરી શકતો નથી. હાસ્ય પોલીસ વડાઓને મારી સાથે વાત કરવી ગમે છે કારણ કે હું સમસ્યાનો નિષ્ણાત છું જે તેમને હલ કરવામાં અશક્ય લાગે છે. જાતિવાદ તેમનો વ્યવસાય છે. હવે મારી કુશળતા વૈજ્ઞાનીક બનવાથી આવે જે અભ્યાસ કરે છે કે કેવી રીતે આપણું મન કળાપણું અને ગુનાને સાંકળે છે અને બ્લેક બાળકોને ખોટા પાડે છે કે તેઓ ખરેખર કરતાં વૃદ્ધ છે. તે ભણવામાં પણ આવે છે વાસ્તવિક પોલીસ વર્તન જે મને ખબર છે કે દર વર્ષે લગભગ અમેરિકામાં પાંચ પુખ્ત વયમાં એક કાયદા અમલીકરણ સાથે સંપર્ક ધરાવે છે. તેમાંથી લગભગ એક મિલિયન પોલીસ બળના ઉપયોગ માટે લક્ષ્યાંકિત છે. અને જો તમે બ્લેક છો, તમે બેથી ચાર ગણા વધુ સંભવિત છો તે બળ માટે. પણ તે જાણવામાં આવે છે કે તે આંકડા જેવું લાગે છે. તેથી જ્યારે પોલીસ વડા અથવા પાદરી અથવા ઇમામ અથવા માતા તેઓ બીજા નિશસ્ત્ર કાળા બાળકને ગોળી મારી મનેને અધિકારી કહે છે, હું થોડું સમજું છું તેમના અવાજમાં પીડા છે. તે હૃદય તૂટવાથી પીડા છે જ્યારે તે કોઈ જીવલેણ સમસ્યા હલ કરવામાં નિષ્ફળ થાય છે. કંઇક કરવાનો પ્રયાસ કરવાથી તોડવું તે એક સાથે જરૂરી અને આવશ્યક લાગે છે. જે રીતે ઠીક કરવાનો પ્રયાસ જાતિવાદ સામાન્ય રીતે લાગે છે આવશ્યક અને અશક્ય.